તો, સ્લીપવૉકિંગ બરાબર શું છે? પ્રથમ, આપણે સમજવું પડશે કે કેવી રીતે અમારી ઘણી દૈનિક પ્રવૃત્તિઓ અમારા સક્રિય ધ્યાનની જરૂર નથી. તમારું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ છે તમારું મગજ સભાન છે, ઇરાદાપૂર્વક, નિર્ણય લેવાનું નિયંત્રણ હબ. તમે કદાચ ઉઠવાનું અને ચાલવાનું નક્કી કરો છો તમારા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો ઉપયોગ કરીને, પરંતુ જટિલ સંકલન સંવેદનાત્મક ઇનપુટ્સ અને સ્નાયુઓ જે અનુસરે છે કોઈ ધ્યાન આપવાની જરૂર નથી. તેના બદલે, તે મોટે ભાગે ચલાવવામાં આવે છે વિશિષ્ટ ચેતા કોષોના નેટવર્ક દ્વારા મગજના નીચેના ભાગ સાથે અને કરોડરજ્જુ, ક્યારેક કહેવાય છે "કેન્દ્રીય પેટર્ન જનરેટર. " આ વિસ્તારો સ્વચાલિત હિલચાલને કરે છે અને અસ્તિત્વ સાથે સંબંધિત મૂળભૂત ક્રિયાઓ. સ્લીપ બિહેવિયર ડિસઓર્ડર ધરાવતા લોકો તેમના સપના સાકાર કરી શકે છે જ્યારે તેઓ ઊંઘમાં હોય, સામાન્ય રીતે તેમની આંખો બંધ રાખીને. જો કે, આ એક અલગ શરત છે. સ્લીપવૉકિંગ ખૂબ જ અલગથી ઉદભવે છે ઊંઘનો તબક્કો- નોન-આરઈએમ ઊંઘનો સૌથી ઊંડો તબક્કો, જેને "ધીમી-તરંગ ઊંઘ" કહેવામાં આવે છે. આ સ્થિતિમાં, કોર્ટેક્સ, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સહિત, અનિવાર્યપણે બંધ છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સ્ટેજ પરથી જાગૃત થાય છે, તેઓ સામાન્ય રીતે ઉદાસ દેખાશે કાં તો ફરી સૂતા પહેલા અથવા સંપૂર્ણ સભાન બનવું. તે ક્ષણ માટે, જોકે, તેઓ મધ્યવર્તી સ્થિતિમાં છે ઊંઘ અને જાગરણ. સ્લીપવોકિંગ એપિસોડ, આવશ્યકપણે, આનું આત્યંતિક, લાંબું સંસ્કરણ. ઊંઘમાં ચાલતી વખતે, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ નિષ્ક્રિય રહે છે, તેથી વ્યક્તિ પાસે એક્ઝિક્યુટિવ નથી, તેમની ક્રિયાઓ પર ઇરાદાપૂર્વકનું નિયંત્રણ. પરંતુ તેમના મગજના અન્ય ભાગો સક્રિય છે. અને, જેમ આપણે જાણીએ છીએ, શરીર ઘણું સક્ષમ છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને સામેલ કર્યા વિના. સ્લીપવોકર્સ અવરોધો ટાળો, ચાલો અને બોલો- જો કે તે ઘણીવાર નોનસેન્સ છે. મોટાભાગના સ્લીપવૉકર્સ મૂળભૂત વસ્તુઓ કરી શકે છે, શાંતિપૂર્ણ, લાગણી વગરનું કામ સ્વપ્ન વિનાની સ્થિતિ. દુર્લભ કિસ્સાઓમાં, ઊંઘમાં ચાલનારાઓ વધુ પ્રદર્શન કરે છે રસોઈ અને ડ્રાઇવિંગ જેવા જટિલ કાર્યો. તેઓ પ્રસંગોપાત માર્ગદર્શન આપે છે શારીરિક વિનંતીઓ દ્વારા, જેમ કે ખાવું અથવા જાતીય પ્રવૃત્તિઓ કરવી. અને કેટલાક એપિસોડમાં મગજનો સમાવેશ થાય છે લડાઈ અથવા ફ્લાઇટ સિસ્ટમ, જે દરમિયાન વ્યક્તિ અચાનક એક નિકટવર્તી ભય અનુભવો, અને અવાજ કરવો, રડવું અથવા પથારીમાંથી બહાર નીકળી જવું અને ભાગી જાઓ. આ એપિસોડ્સ, "સ્લીપ ટેરર્સ" કહેવાય છે. નાના બાળકોમાં વધુ સામાન્ય છે અને સામાન્ય રીતે કુદરતી પરિણામ આવે છે. ખરેખર, ઊંઘમાં ચાલવું એ સામાન્ય રીતે છે બાળકોમાં વધુ સામાન્ય, કદાચ મગજના વિસ્તારોને કારણે જે સંક્રમણને નિયંત્રિત કરે છે ઊંઘ અને જાગરણ વચ્ચે હજુ વિકાસ કરી રહ્યા છે. પરંતુ ઊંઘમાં ચાલવાનું કારણ બને છે તે